પરંતુ જેવી રીતે તેં આ ફોટા લીધા તેમ તારા હૃદયમાં પણ એક ફોટો રાખજે જેને તું કયારેય ગુમાવે નહીં." સ્વામીશ્રીએ આપણને સૌને બહુ સરસ પાઠ શીખવી દીધો. કેમેરામાં લીધેલા ફોટા તો ક્યારેક ખોવાઈ જાય, અથવા આપણે જ્યાં-જ્યાં જઈએ ત્યાં આપણી પાસે ન પણ હોય. સ્વામીશ્રીની મૂર્તિ સાચવી રાખવાની સૌથી સુરક્ષિત જગ્યા તો આપણા હૃદયમાં આપણા આત્મામાં જ છે. આથી આપણે ક્યારેય પણ જ્યાં પણ હોઈએ ત્યાં આપણે એમના દર્શન કરી શકીએ. એક વખત લંડનથી કેટલાક બાળકો અમદાવાદના મંદિરે આવ્યા હતા, પ્રમુખસ્વામી તેમને મૂર્તિઓની મહત્તા સમજાવતા હતા. એમણે કાવડમાં માતા પિતાને બેસાડી યાત્રા કરવા જતા શ્રવણની મૂર્તિ બતાવી અને બાળકોને પૂછ્યું, "શ્રવણ એના માતા પિતાને યાત્રા કરવા લઇ જાય છે. તમારા માતા પિતા વૃદ્ધ થાય ત્યારે તમે એમને ક્યાં લઇ જશો?" લંડનથી આવેલા બાળકોએ સાહજિકતાથી ઉત્તર આપ્યો, "ઘરડા ઘરમાં."સ્વામીશ્રીએ એમને કહ્યું, "શ્રવણ એના માતા પિતાને યાત્રા કરવા લઇ ગયો, આ આપણી સંસ્કૃતિ છે. આપણે છેવટ સુધી આપણા માતા પિતાની સેવા કરવી જોઈએ. સ્વામીબાપા ઘણી વાર કહેતા, "તમારે રોજ તમારા માતા પિતાને પ્રણામ કરવા જોઈએ, માતા પિતાની ઈચ્છા મુજબ વર્તવું જોઈ,. એમની વાત સાંભળવી જોઈએ, કારણ વગર ફરિયાદો ન કરવી જોઈએ, ઘરના વડીલોને માન આપવું જોઈએ. તમે જયારે મોટા થાવ ત્યારે એ ન ભૂલવું કે તમારા માતા પિતાએ તમારા માટે શું કર્યું છે." મહાત્મા ગાંધીજી: મહાત્મા ગાંધીજીનું બાળપણ: ગાંધીબાપુના બાળપણનું નામ મોહન હતું. તેઓ રાજકોટની શાળામાં ભણતા હતા. તેઓ અભ્યાસમાં બહુ હોશિયાર નહોતા, પણ તેમને વાંચનનો શોખ હતો. એક વખત એમણે શ્રવણની વાર્તા વાંચી. શ્રવણ તેના માતા પિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવતો. મોહન શ્રવણની આવી ભક્તિથી ઘણા જ પ્રભાવિત થયા. એમણે પણ તેમના માતા પિતાની સેવા કરવાનો નિશ્ચય કર્યો. એક વખત મોહને રાજા હરિશ્ચન્દ્રના જીવન પરનું નાટક જોયું. હરિશ્ચન્દ્રએ એમનું રાજ્ય ગુમાવી દીધું હતું, અને સત્યપાલન માટે ઘણું જ દુઃખ સહન કર્યું હતું. મોહન આ નાટક જોઈને ગદગદિત થઈ ગયા. એમણે હંમેશા સત્યપાલન કરવાનો નિશ્ચય કર્યો, અને હરિશ્ચન્દ્રની જેમ સત્યપાલક અને પ્રામાણિક બનવાનો નિર્ધાર કર્યો. બાળપણમાં મોહન ઘણા જ ડરપોક હતા. એમને રાતના અંધારામાં પોતાના ઘરમાં પણ બહુ જ બીક લાગતી. એમને ભૂતપ્રેત, ચોર અને સાપનો ડર લાગતો. એમના ઘરમાં રમાબા નામની નોકરાણી હતી. રમાબાએ એક વાર મોહનને કહ્યું, "તું આટલો બધો ડરે છે શું કામ? રામ નામ લે, રામ તારું રક્ષણ કરશે, જે રામ નામ લેતા હોય તેને ક્યારેય ડર નથી લાગતો." મોહન આ શબ્દોથી ઘણા જ પ્રભાવિત થયા.